શાંતિપૂર્ણ વિરોધ અટકાવવા અથવા ઇન્ટરનેટ બંધ કરવા અથવા ધીમું કરવા જેવા પ્રતિબંધો લોકશાહીને નબળી પાડે છે. " પાકિસ્તાની નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે બાયડેનના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો આજ કરતાં વધુ સારા બનશે. જો બાયડેન પદ સંભાળે તો બંને દેશો વચ્ચેના સંબંધોને નવું પરિમાણ મળી શકે છે, એમ નિષ્ણાંતો માને છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. મતદાન હજી ચાલુ છે, હાલમાં બાઇડેન એ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા ઇલેક્ટરોલ મતો થી આગળ ચાલી રહ્યા છે, જેને હવે પાછળ છોડવા એ ટ્રમ્પ માટે ખુબ મુશ્કેલ બની ગયું છે. આ જોતા લાગી રહ્યું છે કે બાઇડેન હવે જરૂર વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરશે અને કમલા હેરિસ તેમના ડેપ્યુટી હશે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી એ ભારત માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે હાલના સમયમાં અમેરિકા સાથે ભારતનો સહયોગ ખૂબ જ વધી ગયો છે. ચીન સાથે લદાખની સરહદ પર તણાવ એ ભારત અને અમેરિકાને ખુબ નજીક લાવ્યા છે. તણાવની સ્થિતિ હજી પણ ચાલી રહ્યું છે, નવા રાષ્ટ્રપતિનું સ્થાન કોણ લેશે એ જોવાનું રહે છે. બાઇડેનનું અમેરિકન રાષ્ટ્રપતિ બનવું ભારત માટે સારું છે કે ખરાબ એના સંકેતો છેલ્લા દિવસોમાં જ મળી આવ્યા છે.